નીચલા ભાગને ફ્લોરલ પ્રિન્ટ બેડ કવરથી શણગારવામાં આવે છે અને તે મોટું છે જેનો ઉપયોગ મોટી છોકરી દ્વારા કરી શકાય છે જ્યારે ટોચનો બંક સરળતાથી નાની ઉંમરે ફિટ થઈ શકે છે. મહાન વિચાર! તે નથી? બંક પથારી સાથે સુશોભિત રૂમ બાળકીનો ઓરડો તમારા સૌથી કિંમતી દેવદૂતને વધાવા માટે આના જેવી સુખદ જગ્યાની જરૂર છે. બાળકનો ઓરડો પીચ-ક્રીમ-સફેદ રંગના નરમ ટોન્સમાં શાનદાર રીતે બનાવવામાં આવ્યો છે. તે શાંતિ અને સુંદરતા ફેલાવે છે. રૂમમાં પીચ-રંગીન, કેનેડી કેનોપીડ ડ્રેપ સાથે સફેદ બેબી પલંગ છે. બેડની બાજુમાં આરામદાયક સોનેરી ખુરશી મૂકવામાં આવે છે. સ્ટફ્ડ રમકડાં બાળકને દરેક સમયે મનોરંજન કરશે. છોડ ઓરડાને તેજસ્વી બનાવે છે. ગર્લ્સ બેડરૂમ ડિઝાઇન આઈડિયા કિશોરો વિચારોથી ભરેલા હોય છે અને તેમના બેડરૂમને ગોપનીયતાની જગ્યા તરીકે માનવાં આવે છે. તેમના બેડરૂમમાં મોટાભાગે મહાન વિચારો જન્મે છે, તેથી તે ફક્ત તેબંધબેસે છે કે રૂમ તેમના વ્યક્તિત્વ સાથે મેળ ખાતો હોવો જોઈએ. ઘણાં રંગબેરંગી કુશન કિશોરોની ફેવરિટ છે. નારંગી ખુરશી સાથે લાકડાનું ટેબલ, ડ્રોઅર્સની રસપ્રદ છાતી, નરમ દીવા અને લીલા છોડ રૂમને અદ્ભુત બનાવે છે. કિશોરો માટે આધુનિક બેડરૂમ. શું તમારી દીકરીને આનંદી અને વૈભવી બેડરૂમ ગમશે? તેના માટે એક બનાવો. ઉત્કૃષ્ટ બેડરૂમ સંપૂર્ણપણે સફેદ ગુલાબી અને સફેદ રંગમાં ફ્લોરલ પ્રિન્ટથી શણગારવામાં આવ્યું છે. લાકડાનું ડ્રેસર, કબાટ અને ટેબલ બધું ક્રીમમાં હોય છે અને દિવાલો અને છત પરની ક્રીમ સાથે મેળ ખાય છે. આખા બેડરૂમમાં સ્વપ્ન જેવી ગુણવત્તા છે અને તે નાજુક છે અને દિવાસ્વપ્ન જોનારા કિશોર પર જીત મેળવવાની ખાતરી છે. ફ્લોરલ પ્રિન્ટને પસંદ કરતા કિશોર માટેનો બેડરૂમ તરંગી સરંજામ તમારી સાથે નાની ઢીંગલી માટે રૂમને પસંદ નથી? છોકરીનો બેડરૂમ સુંદર અને કલ્પનાશીલ છે. આછા ગુલાબી-વાદળી પટ્ટાવાળી દિવાલો, પલંગનું બન્ની હેડબોર્ડ અને સફેદ ટેબલ સાથે ગુલાબી બન્ની કાનવાળી ખુરશીઓ કાર્ટૂનની દુનિયાનું વાતાવરણ બનાવે છે. પલંગની સામેની આખી દિવાલમાં આછા ગુલાબી રંગના કબાટ અને ઘેરા ગુલાબી રંગનું સ્ટડી ટેબલ બિલ્ટ-ઇન છે. તમારી પાસે એક ખુશ અને ઉત્સાહિત બાળક હશે જે ફક્ત તેના રૂમને અવિરત પ્રેમ કરશે. તેજસ્વી બેડરૂમ જો તમે તમારા બાળકના બેડરૂમની અંદર સૂર્યપ્રકાશ લાવવા માંગતા હોવ તો એક સરસ વિચાર હોઈ શકે છે. તમારી પુત્રીના જીવનમાં ઉત્સાહ ઉમેરવા માટે આખા રૂમને પીળા રંગથી રંગવામાં આવે છે. આછા પીળા રંગનો ઉપયોગ બેડ કવર અને અલમારી અને બાકીના ફર્નિચર માટે તેજને હળવો કરવા માટે થાય છે. બારીઓ બહાર લીલોતરી તરફ નજર કરે છે. અહીં બાળકના જીવનમાં નીરસ ક્ષણ નહીં હોય! પીળો અને સન્ની બાળકનો બેડરૂમ ગ્રીન બેડરૂમ રંગબેરંગી